હું તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવા આવી છું કે જે તમારા માટે નવું હોઈ શકે છે. વિશ્વની સરકારો અજાણતાં પ્રયોગ આચાર વિશે છે આપણા આબોહવા પર. નવા નિયમો માટે તેમના સલ્ફર ઉત્સર્જનને ઓછું કરવા વહાણોની જરૂર પડશે તેમના ગંદા એક્ઝોસ્ટને સ્ક્રબ કરીને અથવા ક્લિનર ઇંધણ પર સ્વિચ કરવું. માનવ સ્વાસ્થ્ય માટે આ ખરેખર સારું છે પરંતુ સલ્ફર કણો વહાણોના ઉત્સર્જનમાં વાદળો પર પણ અસર પડે છે. આ દરિયા વાદળોની ઉપગ્રહ છબી છે. પેસિફિક વેસ્ટ કોસ્ટથી દૂર. વાદળોની છટાઓ વહાણોમાંથી એક્ઝોસ્ટ દ્વારા બનાવવામાં આવે છે. વહાણોના ઉત્સર્જનમાં બંને ગ્રીનહાઉસ વાયુઓ શામેલ છે જે લાંબા સમય સુધી ગરમીને ફસાવે છે અને સલ્ફેટ જેવા કારણો કે વાદળો સાથે ભળી અને અસ્થાયી રૂપે તેમને તેજસ્વી બનાવો. તેજસ્વી વાદળો અવકાશમાં વધુ સૂર્યપ્રકાશ પ્રતિબિંબિત કરે છે. તેથી, હકીકતમાં, માણસો હાલમાં બે અજાણતાં પ્રયોગ ચલાવી રહ્યા છે આપણા આબોહવા પર. પ્રથમમાં, ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા આપણે વધારી રહ્યા છીએ અને ધીરે ધીરે પૃથ્વી પ્રણાલીને ગરમ કરે છે. આ માનવ શરીરમાં તાવ જેવું કામ કરે છે. જો તાવ ઓછો રહે છે, તેની અસરો હળવા છે. પણ જે જેમ તાવ વધે છે, નુકસાન વધુ તીવ્ર વચે છે અને આખરે વિનાશક. આપણે હવે આમાંથી થોડુંક જોઈ રહ્યા છીએ. અમારા અન્ય પ્રયોગમાં અમે કણોના સ્તર દૂર કરવાની યોજના બનાવી રહ્યા છીએ જે વાદળોને હરખાવશે અને આપણને ઢ।લ કરશે આ વોર્મિંગમાંથી. આ જેવા સમુદ્ર વાદળમાં અસર સૌથી મજબૂત છે અને વૈજ્ઞાનિકોએ આવતા વર્ષે વહાણોમાંથી સલ્ફર ઉત્સર્જન ઘટાડાની અપેક્ષા રાખે છે. હકીકતમાં, મોટાભાગના ઉત્સર્જનમાં સલ્ફેટ્સ હોય છે કે જે વાદળો હરખાવે છે. કોલસો, ડીઝલ એક્ઝોસ્ટ, વન આગ. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે કુલ ઉત્સર્જનના કણો જે ઠંડક અસર જેને તેઓ એરોસોલ્સ કહે છે. જ્યારે તેઓ આબોહવામાં હોય તેટલા બધા વોર્મિંગ જેટલા હોઈ શકે છે. આપણે આજ સુધીનો અનુભવ કર્યો છે, ત્યાં ઘણી અનિશ્ચિતતા છે. આ અસરની આસપાસ અને તે એક મુખ્ય કારણ છે. આપણને વાતાવરણની આગાહી કરવામાં કેમ મુશ્કેલી પડે છે, પરંતુ આ ઠંડક છે કે આપણે ગુમાવીશું જેમ જેમ ઉત્સર્જન ઘટે. તેથી સ્પષ્ટ છે, મનુષ્ય હાલમાં ગ્રહને ઠંડક આપી રહ્યા છે મોટા પાયે વાતાવરણમાં કણો વિખેરવા દ્વારા. આપણે માત્ર કેટલું જાણતા નથી અને આપણે આકસ્મિક રીતે કરી રહ્યા છીએ. તે ચિંતાજનક છે પરંતુ તેનો અર્થ એ હોઈ શકે કે આપણી પાસે વોર્મિંગ ઘટાડવાની ઝડપી અભિનયની રીત છે.